પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીને પરિવારવાદ અને દરબારવાદ પસંદ છે. આ પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અવિશ્વાસ પ્રસ્તાવ અમારી સરકારનો ફ્લોર ટેસ્ટ નહીં પરંતુ વિપક્ષનો ફ્લોર ટેસ્ટ છે. વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ અમારા માટે શુભ હોય છે. એનડીએ અને ભાજપ બધા રેકોર્ડ તોડીને ટૂ થાઉસન્ડ ટ્વેન્ટી ફોરમાં સત્તામાં પાછી આવશે પીએમ નરેન્દ્ર મોદીના ભાષણની મોટી વાતો -પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે ટ્વેન્ટી વનમી સદીનો આ કાલખંડ ભારત માટે દરેક સપનાને સિદ્ધ કરવાની તક આપનાર મહત્વપૂર્ણ સમય છે, આ કાલખંડનો પ્રભાવ એક હજાર વર્ષ સુધી રહેશે. અમે ભારતના યુવાનોને કૌભાંડોથી મુક્ત સરકાર આપી છે. ખુલ્લા આકાશમાં ઉડવાનો આત્મવિશ્વાસર અને તક આપી છે. દુનિયામાં બગડેલી પ્રતિષ્ઠાને પણ અમે સંભાળી છે અને તેને નવી ઊંચાઈએ લઈ ગયા છીએ. વડાપ્રધાને કહ્યું કે વિપક્ષે અવિશ્વાસની આડમાં લોકોના આત્મવિશ્વાસને તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે. એ કહ્યું છે કે ભારતમાંથી અત્યંત ગરીબી લગભગ દૂર થઈ ગઈ છે. કોંગ્રેસ પાસે કોઈ નીતિ નથી, કોઈ નિયત નથી અને કોઈ વિઝન નથી, ના વૈશ્વિક અર્થવ્યવસ્થાની સમજ અને ના તેમને ભારતીય અર્થવ્યવસ્થાની તાકાતનો અંદાજ નથી. કાકા-ભત્રીજાની લડાઈ ઉકેલાશે? કોંગ્રેસના ઓળખ સાથે જોડાયેલી કોઇ ચીજ તેમની પોતાની નથી. તેમના ચૂંટણી ચિન્હથી લઇને વિચારો સુધી કોઇ બીજાના લીધા છે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે અવિશ્વાસ અને અભિમાન તેમની નસોમાં બેસી ગયા છે. તેઓ જનતાનો વિશ્વાસ જોઈ શકતા નથી. શાહમૃગ અભિગમ છે તે માટે દેશ શું કરી શકે. ઘરમાં જ્યારે સારું થાય ત્યારે નજર ના લાગે તે માટે કાળું ટપકું કરવામાં આવે છે. આજે દેશનું મંગળ, વાહવાહી થઇ રહી છે તેના માટે હું તમારો આભાર માનું છું કે તમે કાળા ટપકાના રૂપમાં કાળા કપડા પહેરીને ગૃહમાં આવીને આ મંગળને સુરક્ષિત કરવાનું કામ કર્યું છે. પીએમ નરેન્દ્ર મોદીએ સદનમાં કરી મોટી ભવિષ્યવાણી, કહ્યું ટૂ થાઉસન્ડ ટ્વેન્ટી એઈટમાં વિપક્ષ ફરી લાવશે અવિશ્વાસ પ્રસ્તાવ -વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિપક્ષના લોકોને એક રહસ્યમય વરદાન મળ્યું છે કે આ લોકો જેનું ખરાબ ઈચ્છે છે તેનું સારું થશે. આવું જ એક ઉદાહરણ તમારી સામે ઊભું છે. ટ્વેન્ટી વર્ષ થઈ ગયા, શું નથી કહ્યું છતા ભલું જ થતું રહ્યું છે -પીએમે કહ્યું કે જ્યારે અમે દાવો કરીએ છીએ કે અમે અમારી ત્રીજી ટર્મમાં દેશને વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા બનાવીશું તો એક જવાબદાર વિપક્ષનું કામ શું હોય? તેમણે સવાલ પૂછ્યા હોત કે 'નિર્મલા જી, મોદીજી તમે આ કેવી રીતે કરશો? આ પણ મારે શીખવાડવું પડશે. આ લોકો ચૂંટણીમાં જાહેરમાં કહેતા હતા કે તેમને પહેલો નંબર મળશે. આપણા વિપક્ષની આ ત્રાસદી છે. આ લોકો અનુભવ વગરની વાત કરે છે. તે કહે છે કે આ બધું આમ જ થવાનું છે -વિપક્ષો પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે તેઓ ભારતની ક્ષમતામાં વિશ્વાસ કરતા નથી. તેઓને ભારતના લોકોમાં વિશ્વાસ નથી.